ગોકળગાય બ્લેડ કે તલવાર ની ધાર પર ઇજા પામ્યા વગર ચાલી શકે છે! પર્વત ' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે! ફિલિપાઇન્સન ની બાયા' બોયા ' ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે, જેથી માળો રાત્રે ચમકે! જન્મથી જ અંધ હોય તેને સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે! દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે, જે એક પોઇન્ટ પાંચ મીટર ઊંચું હોઇ શકે! તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ બહાર કાઢીને કર કરવામાં આવે છે. અરબી ભાષામાં ઊંટને માટે એક હજારથી પણ વધારે શબ્દો છે! મીટર લાંબી લીટી દોરી શકાય છે! માણસની ખોપરીમાં બાવીસ હાડકાં છે, એક જ જબ જડબાનો સાંધો ચાલે છે! તે ન ચાલે તો? ન વાત કરી શકાય, ન છીંક કે બગાસું પણ ખાઇ શકાય! કીડી પોતાના કરતાં પચાસ ગણું વજન ઊંચકી શકે છે અને ત્રણ સો ગણું વજન ખેંચી શકે! સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે ફાંટાવાળી જીભ વડે જ આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે, પણ ચાવવાના દાંત નથી. લીમડાના એક વૃક્ષનું આયુષ્ય એક સો પચાસ થી બસો વર્ષનું ગણાય છે. લીમડો ભારતમાં સર્વત્ર થાય છે. લીમડો ભારતમાં ફૂટ નીચાણવાળા પ્રદેશોમાં અને છેક ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે થાય છે. લીલું સોનું ગણાતા લીમડાના એક વૃક્ષમાંથી દર વર્ષે લગભગ તીસ થી પચાસકિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે. દુનિયામાં લીમડો આજે પશ્ચિમ આફ્રિકા, અમેરિકા, અરબદેશો અને ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વવાય છે. લીમડાના ઝાડ ઉપર તીડ કદી હુમલો કરી, તેનો નાશ કરી શકતો શકતા નથી. ઠંડા પાણી કરતાં ગરમ પાણી ઝડપથી બરફમાં ફેરવાઈ જશે. વાક્ય, "ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ લેઝી ડોગ" અંગ્રેજી ભાષામાં દરેક અક્ષરનો ઉપયોગ કરે છે. શર શરીરમાં સૌથી મજબૂત સ્નાયુ જીભ છે. કીડી બાર કલાકના સમયગાળામાં લગભગ આઠ મિનિટ આરામ કરે છે। "હું છું" એ અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું પૂર્ણ વાક્ય છે. પતંગિયા તેમના પગ ની મદદ થી સ્વાદ લે છે. હાથી એકમાત્ર એવા પ્રાણી છે જે કૂદી શકતા નથી. છેલ્લા વર્ષોમાં, કોઈ નવા પ્રાણીઓને પાળવામાં આવ્યા નથી. સરેરાશ, લોકો મૃત્યુ કરતાં કરોળિયાથી વધુ ડરતા હોય છે. સ્ટુઅર્ડેસીસ એ ફક્ત ડાબા હાથથી ટાઇપ કરવામાં આવેલો સૌથી લાંબો શબ્દ છે. વિશ્વમાં સૌથી સામાન્ય નામ મોહમ્મદ છે. જ્યારે ચંદ્ર સીધો માથા ઉપર હોય છે, ત્યારે તમારું વજન થોડું ઓછું થશે. રણની રેતીથી પોતાને બચાવવા માટે ઊંટને ત્રણ પોપચા હોય છે. અંગ્રેજી ભાષામાં ફક્ત બે જ શબ્દો છે જેમાં પાંચેય સ્વરો ક્રમમાં છે: "એબ્સ્ટેમિયસ" અને "ફેસીટીયસ. " બધા ખંડોના નામ એ જ અક્ષરથી સમાપ્ત થાય છે જેનાથી તેઓ શરૂ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં દરેક વ્યક્તિ માટે બે ક્રેડિટ કાર્ડ છે. એ સૌથી લાંબો શબ્દ છે જે ફક્ત કીબોર્ડની એક પંક્તિ પરના અક્ષરોનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. માઈનસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ બરાબર માઈનસ ચાલીસ ડિગ્રી ફેરનહીટ જેટલું જ છે। ચોકલેટ કૂતરાઓને મારી શકે છે, કારણ કે તેમાં થિયોબ્રોમિન હોય છે, જે તેમના હૃદય અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. સ્ત્રીઓ પુરૂષો કરતા લગભગ બમણી આંખ મીંચે છે! તમે તમારા શ્વાસને રોકીને તમારી જાતને મારી શકતા નથી.